તાજા ફૂલોની રંગોળી કે ફાડી નાખવાથી પણ ખરાબ શક્તિઓ દૂર થાય છે. લીંબુ અને મરચાંઃ મુખ્ય દ્વાર પર સાત મરચાં સાથે લીંબુ લટકાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. ધૂપ લાકડીઓ: ધૂપની લાકડીઓમાં સુખદ સુગંધ હોય છે જે નકારાત્મક શક્તિઓને દૂર કરે છે અને મૂડને ઉત્તેજિત કરે છે. નઝર બટ્ટુ ફેસ માસ્ક: નઝર બટ્ટુ, અથવા ટોટેમ, આધ્યાત્મિક મહત્વ ધરાવતી વસ્તુ છે જે પ્રવેશદ્વાર પર લટકાવવામાં આવે ત્યારે નકારાત્મક શક્તિઓને અવરોધે છે. "મહાકાલ" ફ્રેશ માસ્ક તમામ પ્રકારની ખરાબ શક્તિઓને ઘરમાં પ્રવેશતા અટકાવે છે. નઝર બટુક નકારાત્મક વાઇબ્સને બેઅસર કરવા માટે પ્રવેશદ્વાર પર લટકાવવામાં આવેલો ચહેરો, માસ્ક રિંગિંગ બેલ્સ અને જાપ મંત્રો, ઘંટ વગાડવો અને ગાયત્રી મંત્ર અને હનુમાન ચાલીસા જેવા મંત્રોનો જાપ પણ રક્ષણ અને શાંતિ પ્રદાન કરતી વખતે નકારાત્મક શક્તિઓને શૂન્ય કરવામાં મદદ કરે છે. મીઠું: ઓરડાના ખૂણે મીઠું છાંટવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે કારણ કે મીઠાના સરફટિકો નકારાત્મક ઊર્જાને શોષી શકે છે. એવિલ આઇની ઉત્પત્તિ: પ્રાચીન ગ્રીસ અને રોમ યુગથી લોકો દુષ્ટ આંખમાં વિશ્વાસ કરે છે. તે સમયે તેઓને લાગતું હતું કે વધુ પૈસા અને ખ્યાતિ ધરાવતા લોકો માટે ખરાબ આંખ સૌથી મોટો ખતરો છે. એવું માનવામાં આવે છે કે દુષ્ટ આંખ શારીરિક અને માનસિક બીમારીઓનું કારણ બને છે અને કોઈ સ્પષ્ટ કારણ વગરની બીમારી દુષ્ટ આંખનું પરિણામ છે. પરિણામે, અજાણ્યા લોકો સામે રક્ષણ આપવા માટે સદીઓથી દુષ્ટ આંખ રક્ષણ, તાવીજ અથવા તાવીજનો ઉપયોગ કરવામાં આવે છે. વિશ્વભરની ઘણી સંસ્કૃતિઓ માને છે કે કોઈ પણ વ્યક્તિ તેમની ઈર્ષાળુ લાગણીઓ અને વિચારોથી અન્ય લોકોને નુકસાન પહોંચાડી શકે છે. દુષ્ટ આંખનું તાવીજ અથવા નઝર તાવીજ લગભગ વર્ષ પહેલાં મેસોપોટેમિયનો દ્વારા પ્રથમ વખત નોંધાયેલું નસીબદાર ચાર્મ છે. તે ખ્રિસ્તી, મુસ્લિમ, બ્રુદ્ધ, યુહૂદી અને હિંદુ જેવી અન્ય સંસ્કૃતિઓમાં પણ જોવા મળે છે. પ્રતીક ગ્રીક, પ્રાચીન ઇજિપ્ત અને તુર્કી સંસ્કૃતિ સાથે પણ જોડાયેલું છે. દુષ્ટ આંખોની માન્યતા થ્રી સદી પૂર્વની છે, જ્યારે તે કેટલીક ગ્રીક શાસ્ત્રીય પ્રાચીન વસ્તુઓમાં પીવાના વાસણો જેવી દેખાતી હતી. હેસિયોડ, પ્લેટો અને પ્લુટાર્ક જેવા અસંખ્ય શાસ્ત્રીય લેખકોએ દુષ્ટ આંખના તાવીજને રક્ષણના એક સ્વરૂપ તરીકે વર્ણવ્યું હતું. ઉપરાંત, વાસ્તુ અને નિષ્ણાતો પણ નકારાત્મક શક્તિઓ સામે રક્ષણ આપવા માટે દુષ્ટ આંખોના તીવ્ર ચીનો ઉપયોગ કરવાનું સૂચન કરે છે. ઘર માટે એવિલ આઇ પ્રોડોક્શનો સારાંશ આજ સુધીના આધુનિક જીવન પર દુષ્ટ આંખોનો શક્તિશાળી પ્રભાવ છે. હકીકતમાં, તે ઘરની સજાવટમાં ખૂબ લોકપ્રિય બન્યું છે.